કોંગ્રેસના નેતા કૌસ્તવ બાગચીએ કહ્યું કે, તેમણે કોલકાતા હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશને રજૂઆત કરી છે, જેમાં હિંસા અને હત્યાની ઘટનાઓને કારણે પશ્ચિમ બંગાળમાં શનિવારની પંચાયતની ચૂંટણીઓને અમાન્ય કરવાની માંગ કરતી અરજી પર તાત્કાલિક સુનાવણીની વિનંતી કરવામાં આવી છે. સમાચાર એજન્સી પીટીઆઈના અહેવાલ મુજબ કેન્દ્રીય મંત્રી નિશીથ પ્રામાણિકને આજે દિનહાટામાં મતદાન મથકના ગેટ પર થોડા સમય માટે રોકવામાં આવ્યા હતા, જ્યારે તેઓ મતદાન કરવા જઈ રહ્યા હતા. સમાચાર એજન્સી પીટીઆઈએ તેમને ટાંકીને કહ્યું, પશ્ચિમ બંગાળ પોલીસ પાસેથી આપણે બીજી શું અપેક્ષા રાખી શકીએ? જો તેઓ કેન્દ્રીય મંત્રીને વોટ આપવાથી રોકી શકે છે, તો હું કલ્પના કરી શકતો નથી કે સામાન્ય લોકો શું અસર હશે. બંગાળમાં કાયદાના શાસનની સંપૂર્ણ નિષ્ફળતા રહી છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે, શનિવારે પશ્ચિમ બંગાળના દક્ષિણ ચોવીસ પરગણા જિલ્લામાં એક વિસ્ફોટમાં બે બાળકો ઘાયલ થયા હતા, જ્યારે તેઓએ બોલ સમજીને રસ્તાની બાજુએ રાખેલો બોમ્બ ઉપાડ્યો હતો. તેમણે કહ્યું કે, રાજ્યમાં પંચાયત ચૂંટણીના મતદાનની વચ્ચે ભાંગોરમાં આ ઘટના બની હતી. એક અધિકારીએ જણાવ્યું કે, બે બાળકોએ સ્વદેી બોમ્બને બોલ સમજી લીધો અને તેમાંથી એકે તેને અડતા જ તે વિસ્ફોટ થયો. વધુ બોમ્બ છે કે કેમ, તે શોધવા માટે સુરક્ષા દળોને વિસ્તારમાં મોકલવામાં આવ્યા હતા. આ પણ વાંચો , ભારતની પ્રથમ મહિલા સિરિયલ કિલર સાયનાઇડ મલ્લિકા કોણ છે? દસ વર્ષ પોલીસની આંખમાં ધૂળ નાખતી રહી. મંત્રીએ કહ્યું કે, મમતા બેનરજીની સરકારમાં મતપેટીઓ લૂંટાય છે અને લોકશાહીને કચડી નાખવામાં આવી રહ્યું છે, મમતા બેનર્જી અને ટીએમસીના નેતાઓ ચૂંટણી જીતવા માટે કોઈપણ સ્તરે જવાનું કામ કરે છે, પરંતુ કોંગ્રેસ અને રાહુલ ગાંધી મૌન છે. કોંગ્રેસ મમતા બેનર્જી સાથે ગઠબંધન કરવા માંગે છે? રાહુલ ગાંધી કંઈ કહેશે? મમતા બેનર્જીની એવી શું મજબૂરી છે કે, દરેક ચૂંટણીમાં હિંસા, હત્યા અને ખૂન વહે છે? સલ્લાને આજીવન કેદની સજા ફટકારતા વિશેષ કોર્ટના બેહજાર ઓગણીસ ના ચુકાદાને બાજુ પર રાખીને, હાઈકોર્ટની બેન્ચે નિર્દેશ આપ્યો કે, જપ્ત કરાયેલી મિલકતોને મુક્ત કરવામાં આવે અને ટ્રાયલ કોર્ટ દ્વારા તેના પર લાદવામાં આવેલ દંડ પરત કરવામાં આવે.